તમને આશ્ચર્ય થશે કે કેવી રીતે પીળા રંગના શેડ્સ બ્રાઉનથી અલગ દેખાવ આપે છે. તેથી, જો તમે બ્રાઉન સાથે ચળકતા પીળા રંગને જોડવાનું નક્કી કરો છો, તો તમને તમારા ઘર માટે ખૂબવિચિત્ર શૈલી મળશે. પરંતુ જો તમે સરસવના પીળા રંગમાં જાઓ છો, તો તમને જૂના ઘરો જેવો ગામઠી અને વિન્ટેજ દેખાવ મળશે. પીળા અને ભૂરા ટોન બ્રાઉન વોલ કલર આઈડિયા તેને પિંક સાથે મિક્સ કરો અમે ખાસ કરીને ફુશિયા ગુલાબી સાથે બ્રાઉન વિશે વાત કરી રહ્યા છીએ. બ્રાઉન બેકગ્રાઉન્ડ પર ઉચ્ચારો ઉમેરવાથી તમારી રહેવાની જગ્યામાં વધુ મજા આવે છે. ગુલાબી રંગ તેજસ્વી કરશે અને કેટલાક વ્યક્તિત્વને અન્યથા તટસ્થ બ્રાઉન રંગમાં લાવશે. સુંદર સંયોજન બ્રાઉન વોલ કલર આઈડિયા તેને ગોલ્ડ સાથે મિક્સ કરો અમને ખાતરી છે કે બ્રાઉન વોલ કલર માટે તમારી શોધમાં,સંયોજન હવે પછી પોપ અપ થયું હશે. સુવર્ણ ઉચ્ચારો સાથે બ્રાઉન રોયલ, શાહી અને વૈભવી લાગે છે. સંપૂર્ણ રૂમની સજાવટમાં સોનાના રંગનો સમાવેશ કરવાથી પણ બ્રાઉન મોનોટોનમાં ખૂબજરૂરી કોન્ટ્રાસ્ટ સર્જાય છે. સોનેરી રંગછટા સાથે બ્રાઉન બ્રાઉન વોલ કલર આઈડિયા તેને ઓરેન્જ સાથે મિક્સ કરો નારંગીબ્રાઉન માટે ઉત્તમ પૂરક રંગ છે. તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના આધારે, તે તમારા ઘરને પોપ બનાવી શકે છે, ખૂબટ્રેન્ડી અને પ્રેરિત વાઇબ ધરાવે છે. બ્રાઉન એક તટસ્થ શેડ હોવાથી, તેની સૂક્ષ્મતા અપેક્ષિત છે, પરંતુ જ્યારે નારંગી સાથે મિશ્ર કરવામાં આવે છે, ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જશો. નારંગી સાથે બ્રાઉન બ્રાઉન વોલ કલર આઈડિયા બ્રિક રેડ બ્રાઉન વિચારો બ્રાઉન પરિવારમાં, હજુ પણ અસંખ્ય વિવિધતાઓ છે જેને તમે તમારા સપનાના ઘર માટે ધ્યાનમાં લઈ શકો છો. બેડરૂમ માટે બ્રાઉન પેઇન્ટ કલર્સની શોધ કરતી વખતે બ્રિક રેડ-બ્રાઉન આવા છે. તે આર્ટ એન્ડ ક્રાફ્ટની જગ્યાએ બેસવા જેવું છે. કદાચ તમારા માટે શાહી સ્પર્શ બ્રાઉન વોલ કલર આઈડિયા વોલનટ બ્રાઉનથી બ્યુટીફાઈ કરો એક બ્રાઉન શેડ જેની સાથે આપણે સંપૂર્ણ પ્રેમમાં છીએ તે છે અખરોટ બ્રાઉન. વોલનટ બ્રાઉન ડાર્ક બ્રાઉન અને લાઇટ બ્રાઉન વચ્ચે ક્યાંક બેસે છે. જો તમે ક્યારેય તમારા ઘર માટે લાકડાની સ્ટાઈલ પસંદ કરી હોય, તોરંગ તમારા માટે છે. બ્રાઉન વોલ કલર ક્યારેય સારો દેખાતો નથી. કુદરતી દેખાવ માટે બ્રાઉન વોલ કલર આઈડિયા આધુનિક ટચ માટે ટેન બ્રાઉન ભૂરા રંગનાશેડમાં ગુલાબી રંગનો સૂક્ષ્મ છાંયો છે. હળવા બ્રાઉન અને રોઝ પિંકના મિશ્રણની કલ્પના કરો અને તે તમારા માટે ટેન બ્રાઉન છે. જ્યારે તમારા બેડરૂમમાં અથવા લિવિંગ રૂમમાં ઉપયોગ થાય છે ત્યારે તે સુપર હૂંફાળું પાનખર અનુભવ આપે છે! જીત માટે